દિવાન બેડ ડિઝાઇન વિચારોનો સારાંશ દીવાન પલંગફર્નિચરનો પરંપરાગત ભાગ છે જેનો ભારતમાં સદીઓથી ઉપયોગ કરવામાં આવે છે. તાજેતરના વર્ષોમાં, દિવાન બેડ ડિઝાઇનમાં આધુનિક પરિવર્તન આવ્યું છે, જેમાં સમકાલીન ડિઝાઇન પરોપરાગત ભાગની કેઝ્યુઅલ, હળવાશવાળી શૈલીમાં પુનઃકલ્પના કરે છે. ઉપરના બ્લોગમાં, અમે પ્રકારના દિવાન બેડ ડિઝાઇન વિચારોની ચર્ચા કરી છે.અલંકૃત વી વિગતો સાથે ક્લાસિક-શૈલીના દીવાન પથારીથી શરૂ કરીને વધુ આધુનિક અને ન્યૂનતમ ડિઝાઇન સુધી, વિકલ્પો પસંદગીની શ્રેણીને આવરી લે છે. આમાંથી કઈ ડિઝાઇન તમે તમારા ઘરમાં રાખવા માંગો છો? અમને નીચે ટિપ્પણી વિભાગમાં જણાવો. બેડ ડિઝાઇન્સ પર વધુ લિવિંગ રૂમ માટે નવીનતમ ડબલ બેડ ડિઝાઇન તમારા ઘર માટે નવીનતમ સોફા કમ બેડ ડિઝાઇન જીત માટે આધુનિક સિંગલ બેડ ડિઝાઇન વિચારો ફોટા સાથે આધુનિક બેડ ડિઝાઇન વિચારો વાસ્તુ મુજબ જમણી પથારીની સ્થિતિ તમારી જગ્યાને જીવંત બનાવવા માટે બેડ અને કપડા ડિઝાઇન પ્લસ બેલ પાત્રમહત્વ, ધાર્મિક અર્થ અને બેલ પાત્રના ફાયદા બેલ પાત્ર, સંસ્કૃતમાં બિલ્વ પાત્ર કહેવાય છે, તે એક પવિત્ર છોડ છે જે દેવ દેવતા, દેવી-દેવતાઓને અર્પણ કરવામાં આવે છે. બિલ્વ શબ્દનો અર્થ બેલ વૃક્ષ અને પાત્રાનો અર્થ થાય છે પાન. અંગ્રેજીમાં બેલ પાત્રાને એગલ મામોર્લોસ તરીકે ઓળખવામાં આવે છે, અથવા વધુ સામાન્ય રીતે વુડ એપલ કહેવાય છે. વધુમાં, છોડ સખત શેલ અને હળવા ટેન્ગી સ્વાદ સાથે બેલ ફળો ઉત્પન્ન કરે છે. પુરાણ અને વેદ મુજબ, બેલ પાત્રમાં સામાજિક, ઉપચારાત્મક અને સાંસ્કૃતિક મૂલ્યો છે. હિંદુ ધર્મમાં, બેલ પાત્રના છોડને એક આશાસ્પદ અને દૈવી વૃક્ષ માનવામાં આવે છે જે ખાસ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. છોડમાં નોંધપાત્ર પ્રમાણમાં સત્વ ઘટકોનો સમાવેશ થાય છે જે વાતાવરણમાં રજ-તમ કણોને નિષ્ક્રિય કરવામાં તમારી મદદ કરવા માટે સાત્વિક ફ્રીક્વન્સીઝને શોષી લે છે અને બહાર કાઢે છે. વધુમાં, બેલ પત્રત્રિપક્ષી પાન છે જે ભગવાન શિવ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રણ આંખો દર્શાવે છે. ત્રણ આંખો, અથવા શક્તિ, નિર્ણય લેવાની, ક્રિયા અને જ્ઞાન સાથે સંકળાયેલી છે. જૈન ધર્મમાં બેલ પત્રના વૃક્ષને પણ શુભ માનવામાં આવે છે. પરપવાંશ, મા તીર્થંકર,વૃક્ષ નીચે નિર્વાણ પામ્યા હોવાનું માનવામાં આવે છે. પણ વાંચોતુલસીનો છોડ અંગ્રેજીમાં બેલ પાત્રા સામાન્ય રીતે બેલ, બીલી અથવા ભેલ તરીકે ઓળખાય છે, બેલને અંગ્રેજીમાં એગલ માર્મેલોસ કહેવામાં આવે છે. બેલ પાત્રાના અન્ય અંગ્રેજી નામોમાં વુડ એપલ, બેંગાલ ક્વિન્સ અને સ્ટોનસ એપલનો સમાવેશ થાય છે. બેલ પત્રસમાં ટ્રિનિટી એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને દર્શાવતા લાકડાના ત્રણ ટુકડાઓ છે. અંગ્રેજીમાં "બિલ્વા" શબ્દ બેલ વૃક્ષ સૂચવે છે. બેલ પાત્રના વૃક્ષનું મહત્વ શિવ પુરાણમાં બેલ પત્રના વૃક્ષ અથવા તેના પાંદડાઓની પૂજા કરવાની મહત્વની